પરંતુ જો તમે કોન્ટેક્ટને ગૂગલ એકાઉન્ટમાં સેવ કરો છો તો તમે તમારા ગૂગલ એકાઉન્ટમાં લોગીન કરીને તમારો નંબર મેળવી શકો છોજો તમે એકાઉન્ટમાં સંપર્ક નંબર કેવી રીતે સાચવવો તે નથી જાણતા, તો આજે આ લેખ દ્વારા હું તમને સૌથી સરળ રીત જણાવવા જઈ રહ્યો છું. નીચેના લેખમાં, મેં સ્ટેપ બાય સ્ટેપ પદ્ધતિ સમજાવી છે, જેને અનુસરીને તમે એકાઉન્ટમાં સંપર્ક નંબર સાચવી શકો છો. ગૂગલ એકાઉન્ટમાં કોન્ટેક્ટ નંબર કેવી રીતે સેવ કરવોજીમેલ એકાઉન્ટમાં કોન્ટેક્ટ સેવ કરવાની રીત ખૂબ જ સરળ છે. જે રીતે તમે મોબાઈલ કે સિમ કાર્ડમાં કોન્ટેક્ટ નંબર સેવ કરો છો, એ જ રીતે તમે જીમેલ એકાઉન્ટ સિલેક્ટ કરીને કોન્ટેક્ટને જીમેલમાં સ્ટોર કરી શકો છો. તમે એકાઉન્ટમાં કોન્ટેક્ટ નંબર બે રીતે સેવ કરી શકો છો. જો તમે તમારા મોબાઇલમાં તમારા એકાઉન્ટમાં સાઇન ઇન કર્યું છે તો તમે એકાઉન્ટમાં સરળતાથી સંપર્ક નંબર સાચવી શકો છો. કોન્ટેક્ટ્સ એપ બધા સ્માર્ટફોન પર પ્રી-ઇન્સ્ટોલ કરેલી છે. સૌથી પહેલા તમારા મોબાઈલમાં કોન્ટેક્ટ એપ ઓપન કરો. પછી તમને નીચે જમણી બાજુ પ્લસ આઇકન દેખાશે, તેના પર ક્લિક કરો. આ પછી, કોન્ટેક્ટને સેવ કરવા માટેનું પેજ ખુલશે, જેમાં તમારે મોબાઈલ નંબર, નામ લખવાનું રહેશે અને નંબરને ગૂગલ એકાઉન્ટમાં સેવ કરવા માટે જીમેલ આઈડી પસંદ કરીને સેવ કરવાનું રહેશે. આ પછી કોન્ટેક્ટ નંબર જીમેલ એકાઉન્ટમાં સેવ થઈ જશે. તમે બ્રાઉઝરમાં તમારા એકાઉન્ટમાં સાઇન ઇન કરીને તમારા એકાઉન્ટમાં નંબર સાચવી શકો છો. સૌ પ્રથમ, બ્રાઉઝરમાં. લિંક ખોલો અને સાઇન ઇન પર ક્લિક કરો. આ પછી, એકાઉન્ટમાં લૉગિન કરવા માટે વપરાશકર્તા નામ અને પાસવર્ડ દાખલ કરીને તમારા એકાઉન્ટમાં લોગિન કરો. જીમેલ એકાઉન્ટ લોગીન કર્યા બાદ ડાબી બાજુએ તમારે જીમેલ પર ક્લિક કરીને કોન્ટેક્ટ ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે. આ પછી એક નવું પેજ ખુલશે જેમાં તળિયે તમને એક મોટું પ્લસ આઇકન દેખાશે, તેના પર ક્લિક કરો. ત્યારબાદ મોબાઈલ નંબર, નામ લખીને કોન્ટેક્ટ સેવ કરો. આ પછી સંપર્ક નંબર જીમેલમાં સફળતાપૂર્વક સેવ થઈ જશે. તમે તમારા જીમેલ એકાઉન્ટમાં તમારા મહત્વના કોન્ટેક્ટ નંબર સેવ કરી શકો છો. જો તમારો મોબાઈલ બગડી જાય, ખોવાઈ જાય કે ચોરાઈ જાય, તો તમે તમારા એકાઉન્ટમાં લોગીન કરીને તમારો જરૂરી સંપર્ક નંબર સરળતાથી મેળવી શકો છો. તમે આ લેખમાં દર્શાવેલ સ્ટેપ્સ ફોલો કરીને એકાઉન્ટમાં કોન્ટેક્ટ નંબર સરળતાથી સેવ કરી શકો છો. નહીં કરી શકાય કોલ રેકોર્ડિંગ, ઇલેવન મેથી બંધ થશે આ સુવિધા, ડીલીટ કરેલી કોલ હિસ્ટરી કેવી રીતે નીકાળવી? પ્રોગ્રામિંગ શું છે અને તેના પ્રકારો, તેની ઉપયોગિતા અને વિશેષતાઓ પર બ્લુ ટિક કેવી રીતે દૂર કરવી? પર, સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ પર મેળવો, વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર. દરરોજ લેટેસ્ટ અપડેટ તમારા પર મેળવવા આજે જ જોઈન કરો અમારું ગ્રુપ. નહીં કરી શકાય કોલ રેકોર્ડિંગ, ઇલેવન મેથી બંધ થશે આ સુવિધા ટ્રુકોલર કોલ રેકોર્ડિંગ ફીચર. મોબાઈલ નંબરની ઓળખ કરતી લોકપ્રિય એપ એ કોલ રેકોર્ડિંગ સેવા બંધ કરવાની જાહેરાત કરી છે.